ડબ્લ્યુએચઓએ કોવિડ ના છ મહિનાના મૂલ્યાંકન પર કટોકટી સમિતિ સાથે બેઠક કર્યા પછી આ વાત કહી. ડબ્લ્યુએચઓએ એક નિવેદનમાં જણાવ્યું છે કે સમિતિએ કોવિડ રોગચાળાની લાંબા ગાળાની આગાહી જણાવી છે. કોરોના વાયરસના અસ્તિત્વમાં આવ્યાને સાત મહિના થયા છે અને તે દરમિયાન સમિતિએ કોરોના વાયરસના જોખમનું મૂલ્યાંકન કરવા માટે ચાર વાર બેઠક કરી છે. આ બેઠક પછી, વિશ્વ આરોગ્ય સંગઠને વૈશ્વિક સ્તરે કોવિડ નો ખતરો નક્કી કર્યો છે. નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અમેરિકાએ પાકિસ્તાન માટેની તેની મુસાફરી પરામર્શમાં સુધારો કર્યો છે અને તેને ત્રીજા સ્તરે રાખીને દેશવાસીઓને પાકિસ્તાનની 'યાત્રાની યોજના પર ફરીથી વિચાર કરવા' કહેવામાં આવ્યું છે. જણાવી દઈએ કે ચોથા સ્તર પર સીરિયા, યમન, ઈરાન અને ઇરાક જેવા હિંસા પ્રભાવિત દેશો સાથે ભારત આ રેટિંગમાં શામેલ છે, પાકિસ્તાન પણ અગાઉ આ કેટેગરીમાં હતું. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટની સલાહ મુજબ, ભારત હજી પણ ટ્રાવેલ કન્સલ્ટન્સીના ચોથા સ્તર પર છે. ભારતમાં કોરોના વાયરસના ચેપના સતત વધી રહેલા કેસોને ધ્યાનમાં રાખીને યુનાઇટેડ સ્ટેટ્સે ઓગસ્ટના રોજ ત્યાં પ્રવાસ ન કરવાની સલાહ આપી હતી.